વર્ષ ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયું, હજુ હમણાં જ ઉત્તરાયણ ગઈ હોય એવું લાગે છે; પરંતુ ઉત્તરાયણ આવી રહી છે. સમયનું કામ જ એ છે કે તમને ખબર પણ ના રહે એટલી ઝડપથી પસાર થઈ જાય છે અને એવી જ રીતે વર્ષ ગયું. બે હજાર ઓગણીસ માં ઘણી એવી ઘટનાઓ બની જેની ઘણી નોંધ લેવાઈ અને ચર્ચાઈ. આ બધી ચર્ચાના કેન્દ્રમાં કોઈ એક શબ્દ રહેતો. જેમ કે, વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમની આગેવાની લીધી હોય કે ફટકાબાજી કરી હોય કેન્દ્રમાં વિરાટ જ રહ્યો, લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની, ચર્ચા ખૂબ થઈ પરંતુ કેન્દ્રમાં ચૂંટણી શબ્દ જ રહ્યો. તો, અમે આવા જ આખા વર્ષ દરમિયાન સૌથી વધારે બોલાયેલા શબ્દોની કક્કાવાર એક યાદી બનાવી છે એ વાંચો અને આનંદો. કોઈ નાના બાળકને કક્કો બોલવાનું કહો તો એના મુજબ ક કલમનો ક, ખ ખડિયાનો ખ, ગ ગણપતિનો ગ હશે અને મોટાભાગના લોકોએ જે કક્કો નાનપણમાં શીખ્યો એ જ સાંભરી શકે છે. અત્યારે ભલે ખડિયો જોવા નથી મળતો પરંતુ આપણે આપણા કક્કામાં ખડિયાનો સમાવેશ કરીએ છીએ જે આપણા મનની વિશાળતા દર્શાવે છે પરંતુ બદલાતા જમાના સાથે કક્કો પણ બદલાવો જ જોઈએ ને! તમે ચાર વર્ષના બાળકને સમજાવો કે 'ટ ટપાલીનો ટ' તો તે બાળક માસુમતાથી પૂછવાનું જ છે કે 'ટપાલી એટલે? ' સવાલ સ્વાભાવિક છે પરંતુ તે જ ભૂલકાને એમ કહેશો કે 'ટ ટિકટોકનો ટ' તો તે તરત સમજી જશે. કારણકે તે જે સાંભળી રહ્યું છે તેની સાથે સમજવું વધુ સરળ પડે. તો કરી લો તમારા કક્કાને અપડેટ અને બની રહો 'આધુનિક જમાનાને અનુરૂપ' કલમ પત્રકારની હોય કે બંધારણની અથવા તો કૃષિની; કલમ શબ્દ આખા વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યો વર્ષ દરમિયાન "વર્લ્ડ કપ કોણ જીતશે? ", "વરસાદ ક્યારે બંધ થશે? ", "વાવાઝોડું ક્યારે આવશે? પહેલા એમેઝોનના જંગલોમાં લાગેલી આગ અને ત્યારબાદ મહારાષ્ટ્રના આરે જંગલોમાં ઝાડના કપાણ મુદ્દે ખૂબ ચર્ચાયેલો શબ્દ. આમ તો બિનગુજરાતી શબ્દ પરંતુ ઈન્ટરનેટ જગતમાં પોતાનું અલગ જ સ્થાન બનાવી લેનારી એપ ટિકટોક. વર્ષની શરૂઆત હાડ થીજાવનારી ઠંડીથી થઈને અંત પણ ઠંડીથી જ થયો. સાર્વત્રિક પડી રહેલી ઠંડી લોકચર્ચાનો વિષય બન્યો. વર્લ્ડકપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરી ક્રિકેટ જગતમાં ભારતનો ડંકો વગાડ્યો તેની ચર્ચા ચાલી હતી ચૂંટણીમાં મતદારોને રીઝવવા વિવિધ રાજકીય પક્ષો દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતો ઢંઢેરો ખાસ્સો ચર્ચાયો ક્યારેક નાણાંની અછત તો ક્યારેક બેંકમાં રહેલાં નાણાં પર બેન્કની જવાબદારી આ બધા મુદ્દાઓમાં નાણાં શબ્દ કેન્દ્રમાં રહ્યો કોઈ પણ ક્ષેત્રમાં પાવરધા રહેવા સમાજના દરેક વર્ગે તાલીમનું મહત્ત્વ સમજ્યું અને આ શબ્દ ચર્ચામાં રહ્યો આ વર્ષે રજૂ થયેલી ફિલ્મ એવેન્જર્સ: એન્ડ ગેમમાં બતાવવામાં આવેલા થોરના રમુજી અવતારને ફિલ્મના ચાહકોએ વધાવ્યો પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓને દર્શન માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર ચર્ચાઓ ચાલી।